બ્રાઉન રંગો વિવિધ રંગો સાથે અજાયબીઓનું કામ કરે છે, કારણ કે લગભગ તમામ રંગો રંગ સાથે સારી રીતે જોડાય છે. દાખલા તરીકે, તમે પ્રકૃતિની નજીક છો તેવો વાઇબ મેળવવા માટે તેને લીલા સાથે જોડી દો. ઉપરાંત, બ્રાઉનના વિવિધ શેડ્સ જેમ કે ડીપ શેડ્સ, એક અત્યાધુનિક વાતાવરણ બનાવે છે અને તમને સુરક્ષિત અનુભવે છે. બેડરૂમમાં બ્રાઉનનો ઉપયોગ કરતી વખતે, હળવા શેડ્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો અને વાઇબ રાખવા માટે તેને હળવા શેડ્સ સાથે જોડી દો. જો કે, ઘરના અન્ય વિસ્તારોમાં જેમ કે પુસ્તકાલય, અભ્યાસ ખંડ, દાદર, બાથરૂમ, રસોડું વગેરેમાં ભૂરા રંગનો વધુ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ઘર માટે બ્રાઉન વોલ પેઇન્ટ કલરનું નિષ્કર્ષ જો બ્રાઉન રંગનો તમારો વિચારહતો, તો અમે આશા રાખીએ છીએ કે અમે તેને બદલ્યો છે! બ્રાઉન કોઈપણ ડિઝાઇન શૈલી માટે યોગ્ય છે. જો મોનોક્રોમેટિક સ્કીમમાં ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ શૈલી બનાવવા ઉપરાંત, જ્યારે અન્ય રંગ સંયોજનો સાથે પણ તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે સારી રીતે અનુકૂળ છે!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 બેડરૂમની દિવાલો અને ઈમેજીસ ગેલેરી માટે ઓરેન્જ બે કલર કોમ્બિનેશન હોમ ડેકોર માર્ગદર્શિકા બેડરૂમની દિવાલો માટે સૌથી વધુ નારંગી રંગના બે રંગના સંયોજનો વિશે વાત કરે છે જે અહીં રહેવા માટે છે અને તમારા બેડરૂમની સજાવટમાં ઘણી હકારાત્મકતા અને ખુશીઓ લાવે છે. તમારા બેડરૂમની દિવાલો માટે યોગ્ય રંગ સંયોજન પસંદ કરવુંતમારા ડેકોર લક્ષ્યો હાંસલ કરવા તરફનું પ્રથમ પગલું છે. બેડરૂમની દિવાલો માટે બે રંગનું મિશ્રણ એક ભવ્ય જગ્યા બનાવવામાં મદદ કરે છે અને તમારા રૂમની સજાવટમાં દ્રશ્ય સંપર્ક ઉમેરે છે. નારંગીસૌથી ખુશ રંગ છે. તેથી, જો તમે તમારા રૂમને વધુ ખુશખુશાલ અને રંગીન બનાવવા માંગતા હો, તો તમારે બેડરૂમની દિવાલો માટે નારંગી રંગના સંયોજનો પસંદ કરવા જોઈએ. ઉપરાંત, વાસ્તુ મુજબ, નારંગી એક સકારાત્મક રંગ છે જે બેડરૂમની દિવાલો માટે યોગ્ય છે કારણ કે તે શક્તિ દર્શાવે છે અને સ્વસ્થ સંબંધોને પ્રોત્સાહન આપે છે. તે ઉજવણીનો રંગ છે અને તમને ખચકાટ વિના તમારી જાતને વ્યક્ત કરવાનો આત્મવિશ્વાસ આપે છે. વાસ્તુ સિદ્ધાંતો અનુસાર, નારંગીના અન્ય શેડ્સ, જેમ કે પીચ, ઘરમાં ગમે ત્યાં ઉપયોગ કરવા માટે આદર્શ છે. બેડરૂમની દિવાલો માટે ઓરેન્જ બે કલર કોમ્બિનેશન ચાલો બેડરૂમની દિવાલો માટે નારંગી બે